આ કીબોર્ડ કમ્પ્યુટર કે લેપટોપ સાથે કનેક્ટ થવા માટે વાયરલેસ ટેક્નોલોજીનો ઉપયોગ કરે છે. આ કીબોર્ડને તમે પોતાની ઈચ્છા મુજબ પોતાના ખોળામાં અથવા ટેબલ ઉપર જ્યાં મૂકવું હોય ત્યાં મૂકીને ઉપયોગ કરી શકો છો. આમાં કોઈ કેબલ નથી હોતો એટલે તમારે બસ તેને બેટરી દ્વારા ચલાવવાનું હોય છે. મિકેનિકલ કીબોર્ડમાં તમને મિકેનિકલ સ્વિચ જોવા મળે છે જેના કારણે તમે જ્યારે આ કીબોર્ડમાં કોઈ પણ બટન દબાવો છો તો તમને એક સારો અવાજ સાંભળવા મળે છે. બીજા કીબોર્ડની તુલનામાં આ કીબોર્ડ થોડું વધારે મજબૂત અને ડ્યુરેબલ હોય છે. આ કીબોર્ડની કી સરળતાથી તૂટે એવી નથી હોતી. ગેમર અને એવા લોકો જેઓ ટાઈપિંગ ખૂબ કરે છે એમના વચ્ચે આ મિકેનિકલ કીબોર્ડ ખૂબ લોકપ્રિય છે કારણ કે આ કીબોર્ડમાં બટન દબાવતા તેમાં અવાજો ખૂબ સારા આવતા હોય છે જેના લીધે બટન દબાવવાની સંતુષ્ટિ સારી મળે છે. જ્યારે તમારી પાસે કોઈ કીબોર્ડ ભૌતિક રૂપમાં નથી હોતું ત્યારે તમે પોતાના ટચ સ્ક્રીનમાં જ એક કીબોર્ડનો ઉપયોગ કરો છો તો આ કીબોર્ડ કીબોર્ડ હોય છે. તમે તમારા સ્માર્ટફોન, ટેબલેટ અથવા ટચ સ્ક્રીન લેપટોપમાં પણ કીબોર્ડનો ઉપયોગ કરો છો. જો તમારી કમ્પ્યુટર સ્ક્રીન ટચ સ્ક્રીન વાળી નથી હોતી તો પણ તમે માઉસ દ્વારા પોતાના સ્ક્રીન ઉપર એક કીબોર્ડનો ઉપયોગ કરી શકો છો. આ એવા કીબોર્ડ હોય છે જે લેઝર લાઇટ દ્વારા પ્રોજેકટ થાય છે. આ કીબોર્ડનું કોઈ સપાટ જગ્યા ઉપર પ્રોજેક્શન કરવામાં આવે છે અને ઇમેજ રિકગ્નિશન ટેક્નોલોજી દ્વારા ડિટેક્ટ કરવામાં આવે છે કે યુઝરએ કઈ કી દબાવી છે. આ કીબોર્ડ ભૌતિક સ્વરૂપમાં ઉપલબ્ધ નથી હોતું માત્ર તેની છાપ દ્વારા તેનો ઉપયોગ કરવામાં આવે છે. ગેમિંગ કીબોર્ડ એવા કીબોર્ડ હોય છે જેને માત્ર કમ્પ્યુટર ગેમ રમવા માટે બનાવવામાં આવ્યા હોય છે. ગેમ રમવા માટે ઘણા સ્પેશિયલ ફીચર આ કીબોર્ડમાં આપવામાં આવે છે જેના લીધે આ કીબોર્ડનો ઉપયોગ કરીને ગેમ રમવાનો આનંદ કઈક અલગ જ હોય છે. કીબોર્ડના ઉપયોગ – કીબોર્ડનો ઉપયોગ કમ્પ્યુટરમાં કોઈ પણ ડેટાને દાખલ કરવા માટે થાય છે. કમ્પ્યુટરમાં લખાણ લખવા માટે કીબોર્ડનો ઉપયોગ થાય છે. કમ્પ્યુટરને જો કોઈ કમાન્ડ આપવી હોય તો પણ કીબોર્ડનો ઉપયોગ કરવામાં આવે છે. કીબોર્ડની મદદથી તમે કમ્પ્યુટરમાં કોડિંગ કરી શકો છો. કીબોર્ડની મદદથી તમે કમ્પ્યુટરમાં ગેમ રમી શકો છો. આવા ઘણા ઉપયોગ કીબોર્ડના છે પણ મુખ્ય ઉપયોગ જોઈએ તો કમ્પ્યુટરમાં લખાણ લખવા અને તેનું આઉટપુટ લાવવા માટે કીબોર્ડ ખૂબ જ મહત્વનું હાર્ડવેર ડિવાઇસ છે. કીબોર્ડમાં કેટલા બટન હોય છે? –? કીબોર્ડમાં કેટલા બટન છે